સમય જતાં પ્રકાશ કેવી રીતે બદલાય છે તેનો અભ્યાસ કરીને અને ખગોળીય પ્રકાશનો રંગ, હું વિસ્ફોટ થનારા તારાઓની પ્રકૃતિ વિશે સમજશક્તિ પ્રાપ્ત કરું છું. તે જ રીતે સિટી લાઇટ્સનો અભ્યાસ કરીને શહેરને કેટલી જરૂર પડે છે અને તેનો વપરાશ છે તે અમે માપી અને આગાહી કરી શકીએ છીએ અને સ્થિતિસ્થાપક ગ્રીડ બનાવવામાં સહાય કરો જે શહેરી વાતાવરણની જરૂરિયાતોને વધારશે. દિવસના સમયની છબીઓમાં અમે પ્રદૂષણના પ્લુમ્સને કેપ્ચર કરીએ છીએ. ન્યુ યોર્ક શહેરમાં ગ્રીનહાઉસ વાયુઓનો પંચ્યાશી ટકા જેવી બિલ્ડિંગમાંથી આવો ગરમી માટે તેલ બળીને. તમે હવાના ગુણવત્તાવાળા સેન્સરથી પ્રદૂષણને માપી શકો છો. પરંતુ કલ્પના કરો કે ન્યૂ યોર્ક સિટીના દરેક બિલ્ડિંગ પર સેન્સર લગાવશો. એક મિલિયન મોનિટરમાંથી ડેટા વાંચવું. ખર્ચની કલ્પના કરો. એનવાયયુ વિદ્યાર્થીઓની ટીમ સાથે અમે એક ગણિતનું મોડેલ બનાવ્યું. એક ન્યુરલ નેટવર્ક જે આ પ્લુમ્સને શોધી અને ટ્રેક કરી શકે છે ન્યૂ યોર્ક સિટીની આકાશરેખા ઉપર. અમે તેમને વર્ગીકૃત કરી શકીએ છીએ. હાનરહિત વરાળ પ્લમ્સ, સફેદ અને પ્રગટાવનાર; પ્રદૂષિત સ્મોકસ્ટેક, શ્યામ અને સતત અને નીતિ ઉત્પાદકોને પડોશી પ્રદૂષણનો નકશો પ્રદાન કરો. આ ક્રોસ-શિસ્ત પ્રોજેક્ટ દ્વારા રૂપાંતર ઉકેલો. પરંતુ આપણે એસ્ટ્રોફિઝિક્સમાં ડેટા વિશ્લેષણની પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ તમામ પ્રકારના ડેટા પર લાગુ કરી શકાય છે, માત્ર છબીઓ જ નહીં. અમને કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ એટર્નીને મદદ કરવાનું કહેવામાં આવ્યું. તેમના અધિકારક્ષેત્રમાં ફરિયાદી વિલંબને સમજો. પ્રોબેશન પર અથવા જેલમાં બેઠેલા લોકો છે, વર્ષોથી ક્યારેક પગેરુંની રાહ જોવી. તેઓ જાણવા માગે છે કે કયા પ્રકારનાં કેસો પર ખેંચાય છે અને તેને સમજવા માટે તેમની પાસે એક વિશાળ ડેટા સેટ કર્યો હતો. પરંતુ કુશળતા ન હતી અથવા એમ કરવા માટે તેમની સાધનો. મેં મારા સાથીદાર પબ્લિક પોલિસી પ્રોફેસર એન્જેલા હોકન સાથે કામ કર્યું, અને અમારી ટીમે સૌ પ્રથમ વિઝ્યુઅલ ડેશબોર્ડ બનાવ્યું કાર્યવાહીની કાર્યવાહી જોવા અને સારી રીતે સમજવા માટે. અમે જાતે જ તેમના ડેટા વિશ્લેષણ કર્યા. પ્રક્રિયાની અવધિ જોવી જોઈએ કે કેમ તેમના અધિકારક્ષેત્રમાં સામાજિક અસમાનતાઓથી પીડાય છે. અમે પદ્ધતિઓનો ઉપયોગ કરીને આવું કર્યું કે હું હજારો તારાઓની વિસ્ફોટોને વર્ગીકૃત કરવા માટે ઉપયોગ કરીશ. કોર્ટના હજારો કેસોમાં અરજી કરી અને આમ કરવાથી અમે એક મોડેલ બનાવ્યું છે જે અન્ય અધિકારક્ષેત્રોમાં લાગુ થઈ શકે છે જે તેમના પૂર્વગ્રહનું અન્વેષણ કરવા તૈયાર છે. ડોમેન નિષ્ણાતો અને એસ્ટ્રોફિઝિસ્ટ્સ વચ્ચે આ સહયોગ પરિવર્તનશીલ ઉકેલો બનાવ્યાં લોકોની જીવન ગુણવત્તા સુધારવામાં મદદ કરવા માટે. પરંતુ તે એક દ્વિમાર્ગી રસ્તો છે.